એટલામાં મહારાજ ત્યાંરે યુવાનના કક્ષમાં પ્રવેશ્યાં. રાજમાતાને નમન કરી સામે બિરાજ્યાં. રાજમાતાએ વીરની પાસે જઈને માથે હાથ દેતા પૂછ્યું,"બેટા હું તને ઓળખી ગઈ છું, તું મને ઓળખે છે કે નહીં?" વીર સામું જોઈ રહયો એટલે રાજમાતાએ તેનાં જુના સંસ્મરણો મુજબ વીરનો હાથ લઇને તેની આંગળીએ પટાકો પાડતાં વીરને યાદ આવતાં બોલ્યો,મહારાજને નવાઈ લાગી. રાજમાતાએ મહારાજને કહ્યું,"બેટા આ તારા પિતાનાં મોટાભાઈ આપડા મહારાજાની દિકરી કૈલાસકુંવરીની દીકરીનો પૂત્ર ચંડીસરનો યુવરાજ વીરસિંહ સીસોદીયા છે. તમારો ભાણેજ છે." મહારાજ નજીક આવીને માથે હાથ ફેરવતાં બોલ્યાં,"ભાણેજ આટલો સમય અમારા રાજ્યના રણમાં ગુપ્તવાસ કેમ રહ્યાં? આ તમારાં મામા પર વિશ્વાસ ન હતો?" વીર ધીમેથી બોલ્યો,"સત્ય કડવું હોય છે. મારાં નાનાં રાજા હતાં, અને તેમનાં મૃત્યુ બાદ તમારાં પિતાશ્રી રાજા બન્યાં. તેમણે તમારો હક ઝુંટવાઈ જવાની બીક લાગતાં અમને મહેલમાં પ્રવેશ ન આપ્યો. ખરાં સમયે મને અને મારી માતાને જાકારો આપનાર તમારાં પિતા હતાં, અને તમારાં કારણે જ મારી માતાનું મૃત્યુ થયું, મારે વન-વન ભટકવું પડ્યું. એટલે હવે હું મારી તાકતથી જાતે લડવાની કોશિશ કરી રહયો છું. પણ સંજોગો મને અહીં ખેંચી લાવ્યાં. બાકી હું તમારુ મો પણ જોવા માંગતો ન હતો." કહીને તેને બળપૂર્વક ઊભાં થવાની કોશિશ કરતાં બૂમ પાડી,"વસુંધરા જલ્દી આવો, મને અહીં ઘુટન થાય છે. મને જલ્દી અહીંથી બહાર પહોંચાડો." વસુંધરાનો શક સાચો પડ્યો તે તમામ મર્યાદા તોડી તરત આવીને બોલી,"હાં વીર ચાલો હું તમને અહીંથી લઈ જાવ બહાર." વાતમાં નવો વણાંક આવ્યો, વ્હાલા વીરને પોતાની ગોદમાં રમાડનાર તેની માતાનાં કાકીમા આજ પોતાનાં પતિનાં ખુબ જ ખરાબ કાર્યની આજ ખબર પડતાં ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં, અને મહારાજ પોતાનાં પિતાજીના નિર્ણયને સમજવા મથામણ કરતાં હતાં. રાજમાતા હાથ જોડીને ઊભાં હતાં આજ એક પાત્ર સામે દિલગીર બનીને જીવ ઢોળ્યું. ત્યાં જ મધુમતી પ્રવેશ કરે છે,"કેમ મારા ભાઈને હેરાન કરો છો? જરૂર અહીં કાંઈક તો રંધાઈ રહ્યુ છે, જે મારી જાણ બહાર છે." વસુંધરાના રડમશ મોઢા સામું જોઈ મધુમતી વઘુ ઊગ્રે બની રહી હતી. કોઈની પાસે આજ કાંઈ કહેવા જેવું હતું નહીં. અચાનક આવી પહોંચેલ બીમાર રાજકુમારીને ગુસ્સો ન આવે તે માટે રાજમાતાએ મધુમતીને પાસે બેસાડી વ્હાલથી બધી વાત કહી અને મધુમતીનાં દાદા એટલે કે તેમનાં સ્વ. પિતાજ આ નાનકડાં વીરને પડેલ દુખ અને તેની માતાની હત્યા માટે જવાબદાર હોવાનું કહી રાજમાતા રડી પડ્યાં. મધુમતી વીર સામું જોઈ બોલી,"તમે આ મારા ભાઈ વીરસિંહને